વ્યક્તિ પોતાના અનુભવના આધારે આગળ વધે છે. આ એક સતત પ્રક્રિયા છે. તે એક ઘટના પર આધારિત નથી કે માત્ર બે-ત્રણ ઘટનાઓ પર આધારિત નથી. તમારા જે વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે તેનો સંદર્ભ શું હતો? તે સમયે તમારી રાજકીય સ્થિતિ શું હતી? મારી પાસે કોઈ હોદ્દો નહોતો, કોઈ રાજકીય હોદ્દો નહોતો, કોઈ સામાજિક હોદ્દો નહોતો, આંદોલનમાં કોઈ સ્થાન ન્હોતું, હું માત્ર એક સ્વયંસેવક હતો. મારા સમુદાય સાથે ઘણો અન્યાય થયો, લોકો પર ગોળી ચલાવવામાં આવી, ઘણા યુવાનો પર ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવ્યા, નિર્દોષ માતાઓને માર મારવામાં આવી. તેથી મને દુઃખ થયું અને દુઃખ થયું કે અમારી સાથે આવું કેમ કરવામાં આવી રહ્યું છે, અમે શું ખોટું કર્યું છે. મેં જે કહ્યું તે કહ્યું. તમે હાર્દિક પટેલને કોંગ્રેસ છોડીને માં જોડાવા માટે ખુલ્લેઆમ આમંત્રણ આપ્યું હતું. તમને શું લાગે છે કે તે ભાજપમાં કેમ જોડાયા? શું તમે તેની સાથે સંપર્કમાં રહ્યા છો? અમારું સામાજિક જોડાણ છે, તેથી તે રહેશે. અમે સામાજિક રીતે અલગ થયા નથી. તેમના રાજકીય વિચારો અલગ છે, મારા અલગ છે. તેથી તે સારું છે. તે દરેકની સ્વતંત્રતા છે. તેણે નિર્ણય લીધો અને તેણે આ નિર્ણય શા માટે લીધો તે ફક્ત તે જ કહી શકે છે. તે કહેવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે. હવે શું છે પાટીદારોના પ્રશ્નો? સત્તામાં આવે તો તેમના માટે કયા વચનો છે? પાટીદારો હોય કે અન્ય કોઈ સમુદાય. આજે બધાની સમસ્યાઓ સમાન છે. ત્રણ મુખ્ય મુદ્દાઓ છે. પ્રથમ મોંઘવારી છે. એવું નથી કે માત્ર એક જ સમુદાય તેની સાથે સંઘર્ષ કરી રહ્યો છે, તમામ સમુદાયો સંઘર્ષ કરી રહ્યા છે. બીજું મોંઘું શિક્ષણ કે પછી સરકારી શિક્ષણની દુર્દશા હોય. તમામ સમાજને સમજાયું છે કે જો દિલ્હીમાં સારી શાળાઓ બની શકે તો ગુજરાતમાં કેમ નહીં? ત્રીજો મુદ્દો ભ્રષ્ટાચારનો છે, દરેક વ્યક્તિ ભ્રષ્ટાચારના મુદ્દાથી પરેશાન છે. અમે આ મુદ્દાઓને ઉકેલીશું. પછી પાટીદાર આંદોલને ગુજરાતના રાજકારણને કેવી રીતે આકાર આપ્યો? ત્યારપછી ભાજપ પ્રત્યે પાટીદારોનો અભિગમ કેવો છે? તે સમયે અનેક આંદોલનો થયા, તે માત્ર પાટીદાર આંદોલન નહોતું. દલિત આંદોલન, ઠાકોર આંદોલન અને ઘણા નાના આંદોલનો થયા. અને આ તદ્દન આક્રમક હતા, અને મોટાભાગે તેઓ લગભગ સફળ થયા હતા. ચોક્કસ રાજકારણમાં પરિવર્તન આવ્યું છે. રાજકારણમાં મોનોપોલી કે રાજકારણીનો દીકરો જ રાજકારણી બને કે પછી રાજકારણીના પરિવારનો કોઈ વ્યક્તિ બને એ વ્યવસ્થા નબળી પડી ગઈ છે. હવે સામાન્ય પરિવારના લોકો રાજકારણમાં આવી રહ્યા છે. હું તેનું ઉદાહરણ છું, હાર્દિક પણ છે, જિગ્નેશ પણ